સચોટ આગાહી પૂરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક સામાન્ય કહેવત છે: "પ્રલય એ ભગવાનનું કામ છે, પણ પૂરથી થયેલું નુકસાન મોટાભાગે માણસનું કામ છે". પૂર વ્યવસ્થાપનમાં શું અવરોધો છે? બિન-માળખાકીય પદ્ધતિઓમાં બાંધકામનો સમાવેશ થતો નથી, તેથી પર્યાવરણ અથવા અન્ય કોઈપણ પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. જો કે, પાણીનું સંરક્ષણ કે વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવતું નથી. મોટા અને મધ્યમ જળ સંરક્ષક પ્રોજેક્ટ્સ મોટા પ્રમાણમાં પાણી બચાવી શકે છે, જે અન્યથા વેડફાઇ જતું હોત. તેથી, પૂરનું સંચાલન કરવા માટે, હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો જોઈએ અથવા નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નીતિ બનાવવી જોઈએ. આ ક્યારેક પૂરનું કારણ બને છે. ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી અને મહાનદી જેવા તટપ્રદેશોમાં મોટા પાયે પૂરનો પ્રવાહ વધારે છે. ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓ માટે જે સંગ્રહ વ્યવસ્થા કરવામાં આવી છે તે અપૂરતી છે. પાણીના સંરક્ષણના વિકલ્પો મોટા ભંડારણોથી લઈને ખેત તલાવડીઓ સુધી બદલી શકાય છે. જેની અસર પણ બદલાય છે. દરેક વિકલ્પમાં ચોક્કસ ફાયદા, મર્યાદાઓ, ચિંતાઓ અને જરૂરિયાતો હોય છે. કોઈપણ વિકલ્પને સંપૂર્ણ રીતે નકારી કાઢવો તે બુદ્ધિમાની નથી. વરસાદની પેટર્ન, તીવ્રતા અને અવધિમાં ફેરફારની શક્યતા આગાહીને મુશ્કેલ બનાવી રહી છે. તાજેતરમાં એ એસેસમેન્ટ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, વોર્મિંગ વિશ્વમાં, ભવિષ્યમાં વધુ તીવ્ર વરસાદની ઘટનાઓ સામાન્ય બનાવી શકે છે.